ખરીફ પાક માટે એમએસપીમાં વધારો એક સત્તાવાર નિવેદન અનુસાર, મગ માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) રૂપિયા આઠ હજાર પાંચસો અઠ્ઠાવનપ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. ગયા વર્ષના રૂપિયા સાત હજાર સાતસો પંચોતેર પ્રતિ ક્વિન્ટલની સરખામણીમાં તેમાં રૂપિયા આઠસો ત્રણનો વધારો થયો છે. સરકારે માર્કેટિંગ સીઝન બેહજાર ત્રેવીસ-ચોવીસ માટે વિવિધ ખરીફ પાકોના એમએસપીમાં વધારો મંજૂર કર્યો છે. આ નિર્ણયનો હેતુ ખેડૂતોને તેમની પેદાશો માટે યોગ્ય ભાવ આપવાનો અને પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવાનો છે. કયા પાકના એમએસપીમાં વધારો થયો? મકાઈના એમએસપીમાં રૂપિયા. એકસો અઠ્ઠાવીસ પ્રતિ ક્વિન્ટલ અને ડાંગરના એમએસપીમાં રૂપિયા "એકસો ત્રેતાલીસ પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. તુવેર દાળના એમએસપીમાં રૂપિયા. ચારસો પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. મગના એમએસપીમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે, જે વધીને રૂપિયા. આઠ હજાર પાંચસો અઠાવન પ્રતિ ક્વિન્ટલ થયો છે. આ વધારાથી ખેડૂતોને તેમની પેદાશો માટે વધુ સારો ભાવ મળવાની અપેક્ષા છે. સરકારના જણાવ્યા અનુસાર, આ ખેડૂતોને યોગ્ય મહેનતાણું આપવાની દિશામાં મહત્વનું પગલું છે. તુવેર, સોયાબીન અને અડદ બાદ બાજરીના કિસ્સામાં ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચની સરખામણીમાં સૌથી વધુ માર્જિન મળવાની અપેક્ષા છે. બાકીના પાકોમાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછું પચાસ ટકા માર્જિન મળવાનો અંદાજ છે. એમએસપી શું છે? એમએસપી એટલે લઘુત્તમ ટેકાનો ભાવ. તે ખેડૂતોને તેમની પેદાશ માટે મળતા લઘુત્તમ ભાવની ખાતરી આપતી વ્યવસ્થા છે. જ્યારે કૃષિ પેદાશોના બજાર ભાવએમએસપીથી નીચે જાય છે, ત્યારે સરકારની પ્રાઇસ સપોર્ટ સ્કીમ લાગુ થઈ શકે છે. આ વ્યવસ્થાનો હેતુ ખેડૂતોને ભાવમાં મોટા ઘટાડાથી સુરક્ષા આપવાનો, તેમની આવકને ટેકો આપવાનો અને દેશમાં કૃષિ ઉત્પાદન વધારવાનો છે. અદાણી ગ્રૂપ અદાણી ગ્રૂપ પર અમેરિકાની શોર્ટ-સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે સ્ટોક મેનીપ્યુલેશન અને છેતરપિંડીના આરોપો મૂક્યા હતા. અદાણી ગ્રૂપે હિંડનબર્ગના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને રોકાણકારોનો વિશ્વાસ ફરી મેળવવા માટે વિવિધ પગલાં લેવાની વાત કરી હતી. આગળના અહેવાલમાં ગ્રોસ એસેટ્સ રૂપિયા